સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરની દિવાલો પર અખરોટનું ટ્રેઝર, ટ્રંક ટેબલ ટોપ અને જાંબુડિયા રંગનો નારંગી ચામડાનો સોફા તેના શાનદાર લિવિંગ રૂમના મુખ્ય ઘટકો છે. લિવિંગ રૂમનું સમગ્ર વાતાવરણ તેના માટે ઠંડી સૌંદર્યલક્ષી સૂઝ ધરાવે છે. પછી વિવિધ રંગીન સફેદ બેઠકો છે જે હાંસિયાને રેખા કરે છે. ન્યૂનતમ જગ્યાના કેન્દ્રબિંદુઓ પણ સમપ્રમાણરીતે ગોઠવાયેલા છે. એક છેડે એક નાનો છોડ અને લાકડાના નેપકિન કન્ટેનર, બીજી બાજુના ટેબલ પર રહેલા વિસારકને સંતુલિત કરે છે. તમે મૂવી સ્ટાર પાસેથી અપેક્ષા રાખી શકો તેનાથી વિપરીત, સિદ્ધાર્થ મલ્હોત્રાનો લિવિંગ રૂમ ગરમ અને આમંત્રિત છે. કાર્પેટ અને કુશનની બ્લેક એન્ડ વ્હાઇટ ચેક પેટર્ન એકસાથે જાય છે. શહેરી સેટિંગ્સના તેજસ્વી ફ્રેમ વાળા ફોટોગ્રાફ્સ અસ્પષ્ટ દ્રશ્યથી તદ્દન વિપરીત છે. સિદ્ધાર્થ મલ્હોત્રાનું માનવું છે કે તેની રહેવાની જગ્યા આરામદાયક અને ફેશનેબલ બંને બનવાનું ઉત્તમ કામ કરે છે. લાંબા દિવસના કામ પછી આરામ કરવા માટે તેની પાસે ચિત્ર-નરમ, સસ્તું, મેળખાતા સોફા છે. તેઓ હજી પણ મિત્રને નાઈટકેપ માટે આમંત્રિત કરવા માટે પૂરતા આકર્ષક છે. સિદ્ધાર્થ મલ્હોત્રા હાઉસમાં ભવ્ય ડાઇનિંગ રૂમ, તેના સોશિયલ નેટવર્કના આધારે, તે સ્પષ્ટ છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા તેના બી-ટાઉન મિત્રો માટે ગેટ-ટુગેધર, નાસ્તો અને રાત્રિભોજનનું આયોજન કરે છે. મલ્હોત્રાના ડાઇનિંગ એરિયામાં વધુ બ્રાઉન-ટોન ભિન્નતા જોઈ શકાય છે. ભૌમિતિક રંગેલું ઊની કાપડ કાર્પેટીંગ લાકડાના છ-સીટરને સ્યુડે ખુરશીઓ સાથે ટેકો આપે છે અને લાલ અને સફેદ સુશોભન ફૂલદાની રૂમને ગરમ કરે છે. વિસ્તાર માટે લાઇટિંગ છત પરથી લટકતી વિવિધ આકારોની ત્રણ લાઇટ દ્વારા પૂરી પાડવામાં આવે છે. લિવિંગ રૂમમાં મલ્હોત્રાના સોફાની આજુબાજુ મૂકેલા ફાનસની જેમ વધુ એક બળી ગયેલું નારંગી ફાનસ એક ખૂણામાં મૂકવામાં આવ્યું છે. વોલ મિરર સેટિંગની નકલ કરે છે. ઝડપથી રૂમને બમણા મોટા દેખાય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાના ઘરનું રસોડું બાકીના જેટલું ફાજલ છે. તેની નૈસર્ગિક, સફેદ રંગની ડિઝાઇન સાથે, તે હજી પણ ઉપર અને ઉપર જાય છે. કોણે વિચાર્યું હશે? મલ્હોત્રા વિવિધ ખાદ્યપદાર્થો અજમાવતી વખતે કંપની ધરાવે છે કારણ કે તે બારીમાંથી શહેર જોઈ શકે છે. વધુમાં, જ્યારે તે ગયા વર્ષે લોકડાઉનમાં હતો, ત્યારે તેણે બટર લસણના પ્રોન તૈયાર કરવાના તેના પ્રયાસોનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર રિલીઝ કર્યો હતો. અને તે રસોઈ અને અન્ય વસ્તુઓમાં તેમની રુચિ વિશે ઘણું સ્પષ્ટ કરે છે. સિધ્ધાર્થના બેડરૂમમાં એકંદરે શાંત અને શાંત વાતાવરણને કારણે વ્યક્તિ રોજિંદા જીવનના તણાવમાંથી બચી શકે છે.